ઉનાળો પૂરો થાય પછી વર્ષાઋતુ શરૂ થાય છે. આકાશમાં વાદળના ગડગડાટ, વીજળીના ચમકારા અને પવનના સૂસવાટા સાથે મેઘરાજાની સવારી આવી પહોંચે છે. મૂશળધાર વરસાદ તૂટી પડે છે. ચારે બાજુ પાણી પાણી થઇ જાય છે. લોકો ખુશખુશાલ થઈ જાય છે. બાળકો પાણીમાં છબછબીયા કરવા માટે ઘરની બહાર દોડી જાય છે. મોર કળા કરીને નાચે છે. દેડકા ડ્રાઉંડ્રાઉંકરે છે. ચારે બાજુ ભીની જમીનની સુગંધ ફેલાઈ જાય છે. વૃક્ષો ખીલી ઊઠે છે. લોકો છત્રી ઓઢીને કે રેઇનકોટ પહેરીને બહાર નીકળે છે. વાતાવરણમાં નવી તાજગી અને નવો ઉમંગ જોવા મળે છે. વરસાદ શરૂ થતાં ખેડૂતો રાજી થઇ જાય છે. તેઓ ખેતર ખેડે છે અને વાવણી કરે છે. થોડા દિવસો પછી ખેતરમાં અનાજના છોડ ઊગે છે. ચોમેર ઉગેલા લીલાછમ ઘાસથી તે ધરતીમાતા એ લીલી સાડી પહેરી હોય એવું લાગે છે. કૂવા, તળાવ, નદી અને નાળા માં વરસાદ નું નવું પાણી આવે છે. જરૂર કરતો વધારે વરસાદ પડે તેને અતિવૃષ્ટિ કહે છે. અતિવૃષ્ટિ થાય ત્યારે નદી-નાળા છલકાઈ જાય છે. ખેતરોનો પાક ધોવાઈ જાય છે. કાચા મકાનો પડી જાય છે. ઘરવખરી અને ઢોરઢાંખર પાણીમાં તણાઈ જાય છે. તેને લીલો દુકાળ પણ કહે છે. વરસાદ સાવ ઓછો પડે તો અનાજ પાકતું નથી, ઘાસ ઉગતું નથી. ધીમે ધીમે જળાશયોના પાણી સુકાવા માંડે છે. તેને સૂકો દુકાળ કે અનાવૃષ્ટિ કહે છે. વર્ષાઋતુમાં રક્ષાબંધન, નાગપાંચમ, શીતળાસાતમ, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો આવે છે. લોકો આનંદ અને ઉલ્લાસથી આ તહેવારો ઉજવે છે. વર્ષાઋતુ પ્રાણીમાત્રના જીવનનો આધાર છે. તેથી જ લોકો એને ઋતુઓની રાણી કહે છે. વૃક્ષો દર્દીની શોભા છે. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. તેના પાન હવામાંના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી વનસ્પતિ માટે સ્ટાર્ચ બનાવે છે અને પ્રાણવાયુ મુક્ત કરે છે. આમ, વૃક્ષો હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો ન હોય તો ધરતી વેરાન રણ જેવી બની જાય. વૃક્ષો વાદળોને ઠંડા પાડે છે, તેથી વરસાદ પડે છે. વૃક્ષો જમીનનું પાણીથી થતું ધોવાણ અટકાવે છે. તે રણને આગળ વધતું અટકાવે છે. વૃક્ષની છાયામાં પશુઓ અને વટેમાર્ગુઓને છાંયડો અને આરામ મળે છે. વૃક્ષ પર પંખીઓ માળામા બાંધે છે. વૃક્ષો આપણને ફળ અને ફૂલ આપે છે. ખાખરાના પાનમાંથી પડિયા- પતરાળા બને છે. વૃક્ષોનું લાકડું બળતણમાં વપરાય છે. કેટલાંક વૃક્ષો ના લાકડામાંથી ઘરનું રાચરચીલું બને છે. વૃક્ષો આપણને મધ, લાખ, ગુંદર, રબર તેમજ કેટલીક ઔષધિઓ આપે છે. પોચું લાકડું કાગળ અને દિવાસળી બનાવવા માં વપરાય છે. ઝાડ તો આપણું જીવન છે. તેમના વિના જીવન અશક્ય નથી. વૃક્ષો આપણને મદદ કરતા હોવાથી તે આપણા મિત્રો છે. તે પથ્થર મારનારને પણ ફળ આપે છે. તેથી વૃક્ષો સંતો જેવા છે. વૃક્ષોનો ઘણો મહિમા છે. તેથી દર વર્ષે વૃક્ષારોપણ દિનની ઉજવણી થાય છે. આપણે વૃક્ષોને બચાવીશું તો,વૃક્ષો આપણને બચાવશે.